ખાસ કરીને તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તીડના હુમલાનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તડના નિયંત્રણ અને પાક બચાવવાના લેવાઇ રહેલા પગલાંની વિગતો પણ આપી હતી કંપનીની નજીકમાં પેટ્રોલ પમ્પ હોવાને કારણે લોકોના જીવ પડીકે બંધાયા હતા આ ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટેની કવાયત શરૂ કરી હતી ત્રીસ મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડાઇમાં વિવિધ રીતે સેવા બજાવનારા નાગરિકોની પ્રશંસા કરી છે આજે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે નાગરિકોના સહકાર વિના આ મહામારી સામે લડવું મુશ્કેલ છે તો આજે વધુ બે કેસ પોઝીટીવ આવતા હોવાથી જિલ્લામાં કુલ એક સો બે કોરોના પોઝીટીવ નોંધાયા છે બોર્ડની યાદીના જણાવ્યા મુજબ આ પુરક પરીક્ષામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એંસી હજાર જયારે ધોરણ બાર સાયન્સમાં તેવીસ હજાર વિધાર્થીઓ નોંધાયા છે રાજયના આઠ શહેરોમાં પપર કેસ તેમજ ગ્રામ્ય વિસ્તારના થઈને ચાર સો અડસઠ કેસ નોંધાયા પૈકી સુરતમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ જોવા મળ્યા હતા કચ્છ જિલ્લામાં વ્યાપક રીતે ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને કારણે ગઈકાલ સાંજે એકવીસ પોઝિટીવ કેસ સામે આવેલ છે એના તબીબો સાથે સંવાદ કરીને અપીલ કરી હતી મુખ્યમંત્રીશ્રીના નિવાસ્થાને યોજાયેલ આ વિડિયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અંજારના કળશ સર્કલ તેમજ નાગલપર ચાર રસ્તાઓ પર અવારનવાર જીવલેણ અકસ્માતો થતા હોવાથી રજુઆત બાદ આ જાહેરનામુ પ્રસિધ્ધ કરયુ છે પોર્ટલ પર નિમણુંકની પ્રતિક્રિયામાં નોંધણી કરવા દસ્તાવેજ અને જરૂરી આધાર પુરાવાઓ ઓનલાઈન મુકવાના રહેશે જિલ્લા શિક્ષણાધિકારી ડો કોરોના સંક્રમણના લીધે પુરક પરીક્ષા જુલાઈ માસમાં ન લેવાના હવેથી આ પરીક્ષા આગામી ઓગષ્ટ માસના અંતમાં લેવામાં આવશે આરતી ભટ્ટ કોરોના સંક્રમણ રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ એક હજાર વીસ કેસ સાથે અત્યાર સુધીનો કોરોના સંક્રમણનો આંક એકાવન હજાર ચાર સો પંચાસી થવા પામ્યો છે જેમાંથી હાલ એક્ટીવ પોઝીટવ કેસની સંખ્યા એક સો વીસ છે આઈ તેમજ એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના આર્થિક સહયોગથી ધોરડો અને હોડકો ખાતે પશુ આરોગ્ય સંભાળ અને લાંબાગાળાના સંકલન કેન્દ્રનો આરંભ થતા બન્ની વિસ્તારના પશુપાલન વ્યવસાયને ઉપયોગી સુવિધાઓ બની રહેશે આરતી ભટ્ટ જાહેરનામુ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નાગલપર ચાર રસ્તે ભારે વાહનના વહન માચે પ્રતિબંધ જાહેર કરતુ જાહેરનામુ કલેક્ટરશ્રી વિણા ડી આરતી ભટ્ટ શાળા ફી ન વસુ લવી નિર્ણય રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તેમજ ઉચ્ચ ન્યાયાલયના આદેશ થી લેવાયેલ શાળાઓની ફી નહી વસુલ કરવાના નિર્ણય થી કચ્છમાં પણ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કોઈપણ પ્રકારની ફી ન વસુલવાનો પરિપત્ર જારી કરાયો છે ભગવાન પ્રજાપતિએ આપેલી વિગતો મુજબ રાજયમાં જયાં સુધી કોઈ શિક્ષણકાર્ય ચાલુ ન થાય ત્યાં સુધી ખાનગી શાળા સંચાલકો વાલી પાસેથી ફી નહી વસુલે તેવા આદેશથી કચ્છના વાલીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો દ્રારા પ્રસિધ્ધ કરાયું છે તે અંતર્ગત ભારે થી અતિભારે માલવાહક વાહનો ભચાઉ થી આવે છે તે વરસામેડી વાય પછી એરપોર્ટ રોડ પછી ગળપાદર ચોકડી થઈને મુન્દ્રા જતા નેશનલ હાઈવે રસ્તાનો ઉપયોગ પરિવહન કરવાનો આદેશ અપાયા છે।